સાઈઝ યોગ્ય સાઈઝ ધરાવતા પલંગની યોગ્ય ડિઝાઈન પસંદ કરવી મહત્વપૂર્ણ છે. તે બેડરૂમની આખી જગ્યા લેતું નથી તેની ખાતરી કરતી વખતે તે સૂવા માટે આરામદાયક હોવું જોઈએ. સામાન્ય રીતે, ટ્વીન-સાઇઝના પથારી નાના-કદના શયનખંડ માટે સરસ કામ કરે છે કારણ કે તે એક રહેવાસી માટે શ્રેષ્ઠ છે. જો કે, જો તમે તમારા પાર્ટનર સાથે રૂમ શેર કરો છો, તો ક્વીન સાઈઝનો બેડ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. કાર્યક્ષમતા આધુનિક બેડ ડિઝાઇન મોટા પ્રમાણમાં વિકસિત થઈ છે. તમે તમારી જરૂરિયાતોનું મૂલ્યાંકન કરી શકો છો અને જરૂરી કાર્યક્ષમતા પ્રદાન કરે છે તે પથારી પસંદ કરી શકો છો. દાખલા તરીકે, સ્ટોરેજને સરળતાથી એક્સેસ કરવા માટે તમે હાઇડ્રોલિક લિફ્ટ સાથે બેડ પસંદ કરી શકો છો. સૌંદર્ય શાસ્ત્ર ફર્નિચરની ડિઝાઇન અને સૌંદર્ય શાસ્ત્ર સાથે કોઈએ બાંધછોડ કરવી જોઈએ નહીં, ખાસ કરીને જો તમે તેને તમારા બેડરૂમમાં અથવા લિવિંગ રૂમમાં મૂકી રહ્યાં હોવ. તમારા બેડરૂમના સૌંદર્ય શાસ્ત્ર અને આંતરીક ડિઝાઇન થીમ સાથે મેળ ખાતી બેડ સ્ટાઇલ પસંદ કરો. દાખલા તરીકે, જો તમારી પાસે વધુ પરંપરાગત થીમ અને સેટઅપ હોય, તો તમે લાકડાના પલંગની ડિઝાઇન પસંદ કરી શકો છો. પરિમાણો તમે ફ્રેમ ખરીદો તે પહેલાં તમારા ગાદલાને માપવું આવશ્યક છે. આ ખાતરી કરશે કે ગાદલું બેડ પર સારી રીતે બેસે છે. વધુમાં, તમારા બેડના પરિમાણો પણ તમારા બેડરૂમના કદ સાથે સુમેળમાં હોવા જોઈએ. સંગ્રહ ધ્યાનમાં રાખવાની બીજી મહત્વપૂર્ણ વિચારણા છે. જો તમે તમારા પલંગનો મહત્તમ ઉપયોગ કરવા માંગતા હો, તો તમે શ્રેષ્ઠ સ્ટોરેજ સાથેની ડિઝાઇન પસંદ કરી શકો છો. સ્ટોરેજ કલાકૃતિઓ પ્રદર્શિત કરવા માટે હેડબોર્ડ સાથે જોડાયેલ બેડ ડ્રોઅર્સ અથવા છાજલીઓના સ્વરૂપમાં હોઈ શકે છે. આધુનિક બેડ ડિઝાઇનના વિવિધ કદ શું છે? પથારીની ડિઝાઇનની શોધ કરતી વખતે, પસંદ કરવા માટે ઘણા પથારીના કદ છે. તમે શ્રેષ્ઠ પલંગ માટે તમારી શોધ શરૂ કરો તે પહેલાં, તમને જરૂર છે તે ચોક્કસ કદ જાણવાની ખાતરી કરો. નીચે અમે પથારીના વિવિધ કદ સાથે તેમના પરિમાણોની રૂપરેખા આપી છે. ટ્વીન/સિંગલ બેડ, ફુલ/ડબલ બેડ, એક્સ્ટ્રા-લૉંગ ટ્વીન બેડ, કિંગ બેડ, ક્વીન બેડ અને કેલિફોર્નિયા કિંગ. આધુનિક બેડ ડિઝાઇન વિચારોનું નિષ્કર્ષ તમારો બેડરૂમ તમારું ઓએસિસ છે. તે રોજિંદા ધમાલમાંથી એકાંત આપે છે, આરામ કરવા માટે અંતિમ જગ્યા આપે છે. અને તમારો પલંગ જગ્યાનું કુદરતી કેન્દ્રબિંદુ છે. તેથી, તમારે કાળજીપૂર્વક શ્રેષ્ઠ બેડ ડિઝાઇન પસંદ કરવી જોઈએ જે તમારા બેડરૂમના દેખાવને વધારે છે. તે ઉપરાંત, તે પૂરતું આરામદાયક હોવું જોઈએ અને તમને કાયાકલ્પ કરવામાં મદદ કરે છે.